રાષ્ટ્રપતિ પદ પરથી દૂર થતાંની સાથે જ તે જેલ પણ જઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેમના કાર્યકાળ દરમિયાન કથિત કૌભાંડોની તપાસ સૂચવે છે કે, તેઓએ રાષ્ટ્રપતિ પદ પરથી પદ છોડ્યા પછી તેને ગુનાહિત કાર્યવાહી ઉપરાંત મુશ્કેલ આર્થિક સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ પદ પર હોવા પર, તેમની સામે સત્તાવાર કામ માટે કેસ ચલાવી શકાતો નથી. પેસ યુનિવર્સિટીના બંધારણીય કાયદાના પ્રોફેસર બેનેટ ગેર્શમેને કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર ગુનાહિત કેસ ચલાવવામાં આવે તેવી સંભાવના છે. પ્રોફેસર બેનેટ ગેર્શમેને એક દાયકાથી ન્યૂયોર્કમાં ચાર્જર તરીકે સેવા આપી છે. ગેર્શમેને કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર બેંક છેતરપિંડી, કરવેરાની છેતરપિંડી, માર્કેટ લોન્ડરિંગ, ચૂંટણીલક્ષી છેતરપિંડી જેવા કેસોમાં આરોપ લગાવી શકાય છે. મીડિયામાં તેના કામોથી સંબંધિત જે પણ માહિતી આવી રહી છે તે નાણાકીય છે. એવા સમયે જ્યારે તેમનો ખાનગી રોકાણ ખૂબ સારી સ્થિતિમાં નથી. તે હોઈ શકે કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ ન હોય તો લેણદારો દેવાની ચુકવણી અંગે ખૂબ ઓછી નબળાઇ બતાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટીકાકારો કહે છે કે, તેમનું રાષ્ટ્રપતિ તેમની કાનૂની અને આર્થિક મુશ્કેલીઓમાં તેમનું બખ્તર બની ગયું છે. ટ્રમ્પે તેમના ઉપરના આક્ષેપોનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તે જ સમયે, તે એમ પણ કહે છે કે તેમના વહીવટ પરના કૌભાંડોના આરોપો અને આ વર્ષની શરૂઆતમાં તેમના પર કરવામાં આવેલા મહાભિયોગ અંગે ન્યાય વિભાગની તપાસ દ્વારા તેમને સફળતાપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.